સેન્ટ્રલ અમેરિકાની જે અભાવ છે તે કામ કરવાની ઇચ્છા નથી. યુ. એસ. ના અર્થતંત્રમાં ફાળો આપવાની ઇચ્છા નથી, અમેરિકનોના જીવનમાં ફાળો આપવા માટે મધ્ય અમેરિકનોની જે અભાવ છે તે આશ્ચર્ય માટેનો કાનૂની વિકલ્પ છે. કાયદેસર રીતે આવું કરવા માટે સમર્થ થવા અલબત્ત નવો મહેમાન કાર્યકર પ્રોગ્રામ હન્ડ્રેડ પર્સન્ટ આ જટિલ ઘટનાને હલ કરશે નહીં. ઘણા આશ્ચર્ય મેળવનારાઓને હજી સલામતી લેવી પડશે. યુ. એસ. સરહદ પર. પરંતુ પ્રવાહ ઓછો થતાં અમે તેમની સાથે માનવતાપૂર્ણ રીતે વ્યવહાર કરવાની રીત વધુ સરળતાથી કરી શકીએ છીએ, પરંતુ આખરે કોઈ એક નીતિ વધુ કરવાનું સાબિત થઈ નથી. ઇમિગ્રેશન સિસ્ટમ બનાવવા માટે કે જે બંને માનવ છે અને વ્યવસ્થિત કામદારો કાયદેસર આવવા કરતાં. આભાર. તેથી, મારી પુષ્ઠભૂમિ તકનીકો અને જાદુમાં છે. અને જાદુગરો રસપ્રદ છે. તેમના ભ્રમણા સિદ્ધ થાય છે જે ટેકનોલોજી કરી શકતા નથી. પરંતુ ત્યારે શું થાય છે જ્યારે તે દિવસની તકનીક લગભગ જાદુઈ લાગે છે? જ્યારે તમે આ કરી શકો છો ત્યારે શું થાય છે? હવે સો વર્ષ પહેલાં તે વેતનનો જાદુ હોત. શું એવી દુનિયામાં ભ્રમણાઓ બનાવવાનું શક્ય છે, જ્યાં તકનીકી કોઈપણ શક્ય બનાવે છે. હવે જો તમે જાણો છો યુક્તિ કેવી રીતે કરવામાં આવે, તો ભ્રમણા ક્યાં છે? પરંતુ હજી પણ અમારી કલ્પના આપણા તર્ક કરતાં વધુ શક્તિશાળી છે અને મશીનોમાં વ્યક્તિને આભારી તે સરળ છે. આ ક્વાઇડકોપ્ટર છે, પરંતુ તે યાંત્રિક ઉડતી મશીનો કરતા વધુ છે. તેઓ આજુબાજુના વાતાવરણનું વિશ્લેષણ કરે છે અને હું જે પણ કરું છું તેના પર પ્રતિક્રિયા આપે છે. એક જ સમયે અઅલ્ગોરિધમ્સ આ સ્વાયત્ર મશીનોને નજીકની રચનામાં ઉડવાની મંજૂરી આપે છે, એકબીજાથી પરિચિત છે અને મારા વિશે જાગૃત છે. ગણિત જે બુદ્ધિ માટે ભૂલથી હોઈ શકે છે અને વ્યક્તિગત માટે બુદ્ધિ. માનવશાસ્ત્ર તે ભ્રાંતિ છે, એક ભ્રમણા જે ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવ્યું છે અને આપણી કલ્પના દ્વારા ભરતકામ કરે છે. એક બુદ્ધિશાળી ઉડતો રોબોટ બનવા માટે, એક મશીન જે જીવંત દેખાય છે. મને લાગે છે કે તેઓ "હેલો" કહે છે. અરે મિત્રો! ચાલો અને ઉતરવાનો સમય. બસ. આભાર. ઠીક છે, મિત્રો, તે ઘરે જવાનો સમય છે. અહીં દરેક ચાલો, બધા ઝડપથી. કોઈ દબાણ નથી, દરેક વ્યક્તિ ફિટ થઈ શકે છે. ત્યાં તમે જાઓ, થોડુંક ડાબી બાજુ, જમણી તરફ થોડુંક. ચાલો, બધાને અને સારું કાર્ય! આભાર. ભાષાઓ ફક્ત કુદરતી રીતે મરી નથી જતી લોકો માતૃભાષા છોડી દે છે, કારણ કે તેમને ફરજ પાડવામાં આવી છે.